ભાજપના જ અસંતુષ્ટ નેતાએ નીતિન પટેલનું અપમાન કરવા અને અક્ષય પટેલને હરાવવા ફેંકાવ્યુ ચપ્પલ. ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે કરજણ બેઠકનો પેટાચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કરજણમાં આવેલ કુરાલી ગામમાં બે દિવસ પહેલાં ચુત્નીના પ્રચાર વચ્ચે સોમવારે રાજ્યના નીતિન પટેલ પર કરજણના કુરાલી ગામમાં ચપ્પલનો ઘા કરવાની બનેલી ઘટનાએ રાજકીય મોરચે ખળભળાટ મચાવી મૂક્યો છે. પોલીસે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા જિલ્લા પોલીસ કહે છે કે ચપ્પલનો ઘા કરાવનાર સૂત્રધાર કોંગ્રેસનો કાર્યકર છે, જોકે, શિનોર તાલુકાના ખુદ ભાજપ-પ્રમુખ કહે છે કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે અને ભાજપમાં હોદ્દાઓ પર પણ રહી ચૂક્યો છે. આમ, ડેપ્યુટી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર કોઈ કોગ્રેસી નહિ પરંતુ ભાજપી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ-પ્રમુખ કહે છે કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે. મધ્ય ગુજરાતમાં આવેલ વડોદરા જીલ્લાના શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ ચંદ્રવદન પટેલે આ સમગ્ર ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે, આ પહેલા તે શિનોર તાલુકા પંચાયતનો સભ્ય પણ રહી ચુક્યો હતો. થોડા સમય પહેલા પણ સંગઠન પર્વ ચાલતું હતું ત્યારે પણ કાર્યકર તરીકે ફોર્મ ભર્યું હતું. તે બીજા કોઇ પક્ષમાં જોડાયો હોય એવું મારા ધ્યાનમાં નથી અને તેને સસ્પેન્ડ કર્યો હોય એવું પણ મારા ધ્યાનમાં નથી. રશ્મિન પટેલ પહેલાં ભાજપનો કાર્યકર હતો, હાલ છે કે નહીં એની મને ખબર નથી. આ ઉપરાંત, વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ દિલુભા ચૂડાસમાએ રશ્મિન પટેલ અંગે જણાવ્યું હતું કે રશ્મિન પટેલ પહેલાં ભાજપનો કાર્યકર હતો. હાલમાં છે કે નહીં એની મને ખબર નથી. તાલુકા ભાજપ-પ્રમુખને પૂછો. રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે નહીં એની મને ખબર નથી વડોદરા જિલ્લા કોંગ્રેસપ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે ચપ્પલની ઘટના અંગે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાની બનેલી ઘટનાને કોંગ્રેસ વખોડી કાઢે છે. અમે આવાં તત્ત્વોને સમર્થન આપતા નથી. ચપ્પલ ફેંકવાના કાવતરામાં ઝડપાયેલા રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે, નહીં એની મને ખબર નથી, પરંતુ તે પહેલાં ભાજપનો સક્રિય કાર્યકર હતો એ નક્કી છે. પોલીસનું કહેવું છે કે, જૂતું ફેંકાવનાર રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર ચપ્પલનો ઘા થતાં વડોદરા જિલ્લા પોલીસવડાએ મંગળવારે મોડી રાત્રે પત્રકાર પરિષદને માહિતી આપતાં જણાવ્યું હતું કે રશ્મિન પટેલે અમિત પંડ્યા નામની વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જણાવ્યું